છેવટે, ભગવાન ગણેશ એક મહત્વપૂર્ણ હિંદુ ભગવાન છે જેની ઘણા લોકો પ્રશંસા કરે છે અને પૂજા કરે છે. તેથી લોકો ગણેશ ચતુર્થી ખૂબ આનંદ અને ઉલ્લાસ સાથે ઉજવે છે અને તેમના ઘરમાં ગણપતિના પુષ્પોની સજાવટ સાથે મૂર્તિઓની સ્થાપના પણ કરે છે. જો તમે વર્ષે તહેવારની ઉજવણી કરવા જઈ રહ્યા છો, તો અમે નીચે ગણપતિ માટેના કેટલાક શ્રેષ્ઠ ફૂલોની સજાવટની યાદી આપી છે. અલબત્ત, તમે ફૂલોની સજાવટનો ઉપયોગ ઘરની અન્ય કોઈ પૂજા માટે પણ કરી શકો છો, જેમ કે હાઉસવોર્મિંગ, ચતુર્થી, દિવાળી વગેરે. જ્યારે પણ તમે ગણપતિની મૂર્તિને ફૂલોથી સજાવવાનું પસંદ કરો છો, ત્યારે કેટલાક ફૂલોના શણગારના વિચારો અને છબીઓમાંથી પ્રેરણા મેળવો. ઘર માટે ગણપતિ ફ્લાવર ડેકોરેશન આઈડિયાઝ. ગણપતિ ફૂલોની સજાવટના વિચારો વિશે વધુ જાણવા માટે આગળ વાંચો, અને પ્રેરણા મેળવવા માટે છબીઓ જુઓ. ડ્રેપ્સ સાથે ગણપતિ ફ્લાવર ડેકોરેશન. બેકગ્રાઉન્ડમાં ડ્રેપ્સ સાથે ગણપતિના ફૂલોનો શણગાર. ઉપરની છબીની જેમ ડ્રેપ્સ વડે તમારા ગણપતિના ફૂલોના શણગારની સુંદરતામાં ઉમેરો કરો. ઓર્ક ઓર્કિડ અથવા ગુલાબ જેવા તેજસ્વી રંગીન ફૂલોથી એક ફ્રેમ બનાવો અને તેમને ઘણાં બધાં પાંદડાઓથી ઘેરાયેલી સફેદ-ટોન કળીઓ સાથે મિક્સ કરો. ફ્રેમના બેકડ્રોપ માટે, સફેદ અથવા ક્રીમ જેવા હળવા રંગોમાં ડ્રેપ્સનો ઉપયોગ કરો અને તેને વધુ ઉગાડવા માટે સેટિંગમાં કેટલાક ટ્રિંકેટ ઉમેરો. મેરીગોલ્ડ અને ગુલાબ સાથે ગણપતિ ફ્લાવર ડેકોરેશન. મેરીગોલ્ડ અને ગુલાબ સાથે ગણપતિ ફ્લાવર ડેકોરેશન. જો તમે, અમારી જેમ, સાદા અને સાધારણ મેરીગોલ્ડ ફૂલોને પસંદ કરો છો, તો ગણપતિ ફૂલોની સજાવટ તમારા માટે છે. એક સાદું ટેબલ લો અને ચારે બાજુ એક ફ્રેમ બનાવો. પછી ફ્રેમને વીંટાળવા માટે તેજસ્વી નારંગી મેરીગોલ્ડ ફૂલોની માળાનો ઉપયોગ કરો અને તેની સાથે સમગ્ર તેમ્બલ ટેબલ આવરી લો. ઉપરની છબીની જેમ, સજાવટમાં ગુલાબનો ઉદાર ઉપયોગ કરો અને બે ફૂલોના રંગ વચ્ચેના વિરોધાભાસને એકબીજાના પૂરક થવા દો. હિંદુ ધાર્મિક વિધિઓમાં મેરીગોલ્ડના ફૂલોની માળા ખૂબ સામાન્ય છે, અને તેનું એક કારણ છે. તેઓ સૂર્યનું પ્રતીક છે અને તેમની આસપાસના વાતાવરણમાં સકારાત્મકતા અને તેજ લાવવા માટે જાણીતા છે. તે એક ફૂલ પણ છે જે લક્ષ્મી, સંપત્તિની દેવી અને ભગવાન વિષ્ણુ ભગવાન ગણેશના માતાપિતા સાથે ગાઢ રીતે સંકળાયેલું છે. સફેદ ગુલાબ સાથે ગણપતિ ફ્લાવર ડેકોરેશન. ઘર માટે સફેદ ગુલાબ ગણપતિના ફૂલની સજાવટ. સફેદ ગુલાબનું વિશેષ મહત્વ છે. તે શુદ્ધતાના, નિર્દોષતા અને વફાદારીનું પ્રતીક છે. તેથી, તેઓ ગણપતિના ફૂલોની સજાવટ તરીકે શ્રેષ્ઠ વિકલ્પો બનાવે છે. તમે યોગ્ય પૃષ્ઠભૂમિ નક્કી કરી લો તે પછી, એક ચોરસ ફ્રેમ બનાવો અને ઉપરની છબીની જેમ તેને સફેદ ગુલાબ સાથે લાઇન કરો. લીલા રંગનો સ્પર્શ ઉમેરવાનું ભૂલશો નહીં. તે ગુલાબના સફેદ રંગને સુંદર રીતે બહાર